દૂધ મલાઈ કરતાં વધારે વજનદાર છે. ભારતમાં પ્રવાસી માટે સૌથી વધારે હોટલો કેરળમાં છે ત્યારબાદ તમિળનાડુમાં છે. ટેલિફોનો આટલા બધા હોવા છતાં દુનિયાનાં પચાસ ટકા માનવીઓ એ કદી ટેલિફોન કર્યો નથી કે મેળવ્યો નથી. દરિયામાં સુનામી તોફાન વખતે મોજાની ગતિ જેટ વિમાનની ગતિ સમાન હોય છે. ઉતારુઓ ટેક્સીમાં લેપટોપ ભૂલી જતાં હોય તેનો આંકડો જાણવા જેવો હોય છે. મોબાઈલનો સૌથી વધુ વપરાશ અમેરિકા અને રશિયા કરે છે, ત્યારબાદ ચીન અને પછી ભારતનો વારો આવે છે. રેડિયમની શોધ કરનાર અને નોબેલ ઈનામ મેળવનાર મેડમ ક્યુરી રેડિયમનાં કિરણોના કારણે મૃત્યુ પામેલા. ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે, જેની ઝડપ કલાકની સિતેર માઈલ એટલે કે એકસો તેર કિલોમીટર ની છે. સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે. જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા. જંગલમાં સિંહનું અયુષ્ય બાર થી પંદર વર્ષનું હોય છે, જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય પચીસ વર્ષનું હોય છે. પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે. સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા આઠ મિનિટ અને સત્તર સેકંડ લાગે છે. પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત દસ ટકા જ જીવીત રહે છે. પૃથ્વી, તારા, સૂરજ બધાં જ ચારસો છપ્પન અબજ વર્ષો જૂના છે. દરેક સેકંડે લગભગ સો વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે. વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ એક હજાર માનવીઓનું મૃત્યુ થાય છે. શું આ તમે જાણો છો? છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા 'ખમ્મા' અથવા 'શ્રીજી બાવા' એવું કંઈક બોલે છે. શરીરમાં રક્તકણો લાલ કણો વીસ જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે. ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે. શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી. માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા બોત્તેર મસલ્સ કામ કરે છે. અમદાવાદને 'માંચેસ્ટર ઑફ ઈંડિયા'નું બિરુદ મળ્યું છે. એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે. રશિયાએ 'સ્પુટનિક' નામનો કુત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો. સ્વ. ચરણસિંહની સમાધિ 'કિસાન ઘાટ' ના નામે જાણીતી છે. પંડિત કાબરાનું નામ 'ગિટાર' સાથે સંકળાયેલુ છે. 'બરફ્ની હૉકી' કૅનેડાની રાષ્ટ્રીય રમત છે. સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરેલામાં આવેલું છે. ઈંદિરા ગાંધી અને ગુલ્ફીકાર ભુત્તો વચ્ચેસિમલામાં શંતિ કરાર થયા હતા. 'ઈંડિયન નેશનલ કૉંગ્રેસ' સૌથી જૂની રાજકીય પાર્ટી છે. 'વ્હીલર' ચેઈન બુકશોપ બસો ત્રેપન રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે. ભારતમાં પ્રથમ એસ. ટી. ડી. ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી. પાંચ . જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું. રાષ્ટ્રીય શાયરનું બિરુદ 'ઝવેરચંદ મેઘાણી'ને આપવામાં આવ્યું હતું.